અમૃત ફાર્મસી આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને સફળ બનાવવામાં પણ યોગ્ય યોગદાન આપે છે જે કેન્દ્ર સરકારની રાષ્ટ્રીય આરોગ્ય નીતિઓનો એક ભાગ છે પાછલા વર્ષોમાં અમૃત ફાર્મસી શરૂ થયા પછી પ્રદેશમાં લગભગ એક લાખ ચોપન હજાર લોકોએ લાભ લીધો હતો કોરોનાના આ સમયગાળામાં અમૃત ફાર્મસી અને લોકોને માસ્ક સેનેટાઈઝર્સ પી ત્રીસ નેશનલ દેશ કોરોના દેશમાં અત્યાર સુધીમાં અંદાજે દસ લાખ પચાસ હજાર કોરોનાના દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે તેમણે કહ્યું કે ભારત સરકાર સાગર અર્થાત વિસ્તારના બધા જ દેશોની સલામતી અને વિકાસને કેન્દ્રમાં રાખતી સંકલ્પના પ્રત્યે પ્રતિબદ્ધ છે ત્રીસ નેશનલ વરસાદ દક્ષિણ ગુજરાત સહિત પશ્ચિમ તથા ઉત્તર ભારતમાં આગામી ત્રણ દિવસોમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના છે જ્યારે મહારાષ્ટ્ર કર્ણાટક આંધ્રપ્રદેશ તમિલનાડુ ઉત્તરપ્રદેશમાં સક્રિય કેસો અગણોસિત્તેર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ભારતના મિત્ર દેશો સાથેના સંબંધો મૂલ્યો સિદ્ધાંતો અને પરસ્પર વિશ્વાસને આધારીત હોય છે દેશમાં અત્યાર સુધી એક કરોડ ઈઠ્યાસી લાખથી વધુ નમૂનાઓનું પરીક્ષણ થઈ ચૂક્યું છે આ ઉપરાંત એક લાખ સાત હજાર ચાર સો બાવન ભારતીયો નેપાળ ભૂતાન મ્યાનમાર પાકિસ્તાન અને બાંગ્લાદેશથી જમીન માર્ગે ભારત પાછા ફર્યા છે આ ઉપરાંત પાંચ સો ભારતીયો જમીન માર્ગે ભારત પાછા આવ્યા છે તેમણે ભારતે શહેરી વ્યવસ્થાપન દરિયાઈ ક્ષેત્રમાં કચરાની સમસ્યા ઉકેલવા તથા હવાનું પ્રદૂષણ રોકવા લીધેલા પગલાંઓની વિગતો આપી હતી બીજા રાજ્યોના મુખ્યમંત્રી આ પ્રસંગે ઉપસ્થિત રહે તેવી સંભાવના નથી પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓના જ્ઞાનના આદાનપ્રદાન વધારવા બ્રિક્સ સંગઠનના દેશોને અનુરોધ કર્યો છે રાજ્યના પ્રવાસન અને સાંસ્કૃતિક વિભાગના મુખ્ય સચિવ જીતેન્દ્ર કુમારે આકાશવાણી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પ્રધાનમંત્રીને અયોધ્યામાં આવકારશે એનડીઆરએફ અને એસડીઆરએફની અઠ્ઠાવીસ ટીમોના જવાનો પુરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને બચાવ કામગીરી કરી રહ્યા છે ત્રીસ નેશનલ બ્રિક્સ પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરે સાતત્યપૂર્ણ વિકાસના લક્ષ્યાંકો હાંસલ કરવા માટે શ્રેષ્ઠ પદ્ધતિઓના જ્ઞાનના આદાનપ્રદાન વધારવા બ્રિક્સ સંગઠનના દેશોને અનુરોધ કર્યો છે દુકાનો રાત્રે આઠ વાગ્યા સુધી જ્યારે હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લી રાખી શકાશે દેશમાં કોવીડના લીધે ઉભી થયેલી પરિસ્થિતિને ધ્યાનમાં લઈ આ કાર્યક્રમ ઓછા સમયમાં પૂરો કરાશે આ પૈકી છ સો બાણું આંતરરાષ્ટ્રીય ઉડ્ડયનો હશે જળસ્રોત મંત્રી સંજય કુમાર ઝાએ જણાવ્યું છે કે સંબંધીત જિલ્લા વહિવટી તંત્રને સતર્ક રહેવાના આદેશ અપાયા છે હવામાન વિભાગે જણાવ્યું છે કે ઉત્તરાખંડ પશ્ચિમ બંગાળ સિક્કીમ હિમાચલ પ્રદેશ ઉત્તરપ્રદેશ પંજાબ હરીયાણા પૂર્વ રાજસ્થાન તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે વંદે ભારત મિશનના પાંચમા તબક્કાનો આવતીકાલ પહેલી ઓગસ્ટથી પ્રારંભ થશે રાજ્યના ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે આ સમયગાળામાં સરકારી ઓફિસો પચાસ ટકા કર્મચારીઓ સાથે કાર્યરત રહેશે રાજ્યમાં ચાલીસ લાખથી વધુ લોકોને અસર થઈ છે રાઝ્માં આગામી પાંચમી ઓગસ્ટથી જીમ તથા યોગ કેન્દ્રો શરૂ કરી શકાશે આઈસીએમઆરે જણાવ્યું છે કે સાત છેલ્લા ચોવીસ કલાકમાં દેશની વિવિધ પ્રયોગશાળાઓ દ્વારા છ લાખ બેતાલીસ હજાર પાંચ સો ઈઠ્યાસી નમૂનાઓનું પરિક્ષણ કરવામાં આવ્યું છે।